અહીં સરેરાશ જાડાઈનો સાદો વાયર/કેબલ શરૂઆતથી દાદરના અંત સુધી ચાલે છે. સૌથી મૂળભૂત ડિઝાઇન પાતળી સ્ટીલ ગ્રીલ ડિઝાઇન બાલ્કની ગ્રીલમાંથી પ્રેરણા લો. આને ઘરની અંદર પણ તમારા દાદર માટે પ્રતિકૃતિ બનાવી શકાય છે. તે એક સ્ટીલ કેબલ દ્વારા બનાવવામાં આવેલ ડિઝાઇન છે જો કેપાતળી છે, ખૂબ નજીકથી અંતરે છે અને ફ્રેમના કેન્દ્રને આવરી લે છે. સ્ટીલ કેબલ સાથે વિવિધતા મિનિમેલિસ્ટિક સ્ટીલ ગ્રીલ ડિઝાઇન આઇડિયા તમે હંમેશા તમારી સ્ટેનલેસ સ્ટીલ દાદરની ગ્રીલને કસ્ટમાઇઝ કરી શકો છો પરંતુ પ્રમાણિકતાથી વધારે જરૂરી નથી. અહીં ઉદાહરણ તરીકે, પરંપરાગત સીડીની ગ્રીલ ડિઝાઇનમાં નાના વર્તુળોને અન્યથા સૌમ્ય દેખાવમાં ઘણી વિવિધતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. દરેક બ્લોક પછી વર્તુળો તમારા સ્ટુડિયો અથવા એપાર્ટમેન્ટને બજેટમાં સજાવવાની સ્માર્ટ રીતો, ફોલ્સ સિલિંગ લાઇટ્સ પસંદ કરવા માટેની ટિપ્સ, સરળ ઘર સજાવટના વિચારો, વોલ ટાઇલ ડિઝાઇન આઇડિયાઝ અનન્ય દેખાવ માટે, છબીઓ સાથે ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ ડિઝાઇન વિચારો, સ્ટાઇલિશ ઘર માટે પ્રકારના ડાઇનિંગ ટેબલ, તમારા ઘર માટે આયર્ન અલ્મિરાહ ડિઝાઇન વિચારો, ઘરના પરંપરાગત દેખાવ માટે લાકડાના મુખ્ય દરવાજાની ડિઝાઇન, તમારી રાશિ પ્રમાણે તમારી આંતરિક ડિઝાઇનની શૈલી જાણો, સોનાનો સ્પર્શ તમે સીડી માટે બેઝિક સ્ટીલ ગ્રીલ ડિઝાઇન સાથે કંઈક અલગ અજમાવવા માંગો છો, ડિઝાઇન વિકલ્પ અજમાવો. અહીં નાની આર્ટવર્ક ગ્રિલ પર કરવામાં આવે છે અને તેને સોનામાં રંગવામાં આવે છે. તમારા સામાન્ય દેખાતા સ્ટીલ સ્ટેરકેસ ગ્રિલ્સ માટે જાઝની યોગ્ય માત્રા. સોનાની આર્ટવર્કનો પેચ ગોલ્ડ વેરિએશનનો સ્પર્શ સીડીની ગ્રીલ ડિઝાઇન માટે પસંદગીની સામગ્રી તરીકે સ્ટીલની પસંદગી મર્યાદિત વિકલ્પો સાથે આવે છે પરંતુ તેનો અર્થ નથી કે તમે વધુ કરી શકતા નથી. જુઓ કેસ્ટીલ કેબલ વચ્ચે કેવી સરળ ડિઝાઇન સામેલ કરવામાં આવી છે. સ્ટીલ સાથે સોનું સંપૂર્ણ મેટલ લુક, સંપૂર્ણ મેટલ દેખાવ સાથે તમારી સીડીની રમતને આગલા સ્તર પર લઈ જાઓ. અહીં સ્ટેપ્સ પણ સ્ટીલના બનેલા છે. ડિઝાઇન પસંદગી ચોક્કસપણે ખૂબ અનન્ય અને ચળકતી પણ છે. જો કે તેને તમારા ઘરમાં સ્થાપિત કરતા પહેલા ખાતરી કરો. તે સુપર ઈન્ટીરીયર ડેકોર દ્વારા સપોર્ટેડ હોવું જોઈએ. માટે તમારા ડિઝાઇન અને ડેકોર પ્રોફેશનલ્સની સલાહ લો. બધા મેટલ દેખાવ વાદળી રંગની સ્ટીલ ગ્રીલ ડિઝાઇનએક સરળ રીત છે જેને તમે તમારા પરંપરાગત સ્ટીલ સ્ટેરકેસ ગ્રિલને સુધારી શકો છો. તમારે ફક્ત ગ્રિલ્સને વાદળી રંગમાં રંગવાની જરૂર છે. શૈલી, ડિઝાઇન સંપૂર્ણપણે મૂળભૂત છે અને ભારતીય ઘરોમાં ખૂબ લોકપ્રિય છે. તે ચોક્કસપણે તમારા ગ્રિલ્સને અલગ બનાવે છે. કેટલાક આનંદ માટે બ્લુ ગ્રિલ્સ હૂક, સીડી ગ્રિલ્સ અન્યથા પરંપરાગત સ્ટીલ ગ્રિલ્સ પરના સમકાલીન ટેક પર એક નજર નાખો. છેડાને ભોંયતળિયામાં એવી રીતે બોલ્ટ કરવામાં આવે છે કે જાણે કે તેઓ હૂક કરેલા હોય.